એક દિવસ ડગે કર્મચારીને કહ્યું કે કામગીરી માટે તે ઉચ્ચ ધોરણો હશે, પરંતુ તેઓ સભ્યતાથી કરવું જરૂરી હતું. તેમણે તે કરીને પણ બતાવ્યુ અને બધાથી અપેક્ષા પણ રાખી. ડગ માટે તે વિચારવામાં કઠોર હતા પરંતુ લોકો માટે નરમ દિલ. તેમના માટે તે રોજની વાતોમાં હતું, અથવા કર્મચારીઓ સાથે રોજની વાતચીતમાં, જો કે રસ્તામાં હોય જમવા, કે મિટિંગમાં. જયારે આ બધામાં સફળ થતાં, તે કર્મચારીઓને મૂલ્યવાન લાગતું. અને બીજા માટે ઉદાહરણ બની ગયા. લીડર પાસે આવા ચારસો તકો આવે છે. અને કંઈક સારું કરવામાં બે મિનિટથી વધુ સમય ના લાગે. આ સમયે બસ ધ્યાન આપવુ જરૂરી છે. સભ્યતા થી લોકો પ્રભાવિત થાય છે. સભ્ય હોવાથી આપના લોકોના શ્રેષ્ઠતામાં વધારો થવાની તકો હોય છે. ઉગ્રતાથી લોકોની શ્રેષ્ઠતામાં અછત છે. ભલે અમુક લોકો કંઈક સારું કરવા પણ માંગે, તો ઉગ્રતા આસપાસ રહે છે. મારા સંશોધનથી જાણું છે કે જ્યારે આપની પાસે વધારે સભ્ય માહોલ હોય, તો જ્યારે આપનીપાસે વધારે સભ્ય માહોલ હોય, તો વધારે ઉત્પાદક,સર્જનાત્મક,મદદગાર,ખુશ અને સ્વસ્થ રહીએ છીએ,અને સારું કરી શકીએ છીએ. આપણે મગજથી વધુ સારું કરી શકીએ છીએ. અને આપણે ક્રિયાઓ દ્વારા બીજાને કામમાં, ધરમાં, ઓનલાઈન, સ્કૂલમાં, સમુદાયોમાં પ્રોત્સાહિત કરી શકીએ છીએ. દરેક વાતચીત કરતાં, વિચારો: તમે શું બનવા માંગો છો? કે તમે શું બનવા માંગો છો? ચાલો, અકલ્પ્યતના રોગને હટાવીએ, અને સભ્યતા ફેલાવીએ. છેવટે, તે જરૂરી છે. આભાર. જ્યારે ટ્રેનો લોકો શટલ શરૂ કરવાનું શરૂ કર્યું દેશભરમાં, ઘણા આગ્રહ રાખ્યો તેઓ ઘોડાઓને ક્યારેય બદલી શકશે નહીં. એક સદી પછી, લોકો કાર વિશે તે જ આગાહી પુનરાવર્તન, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, અને કમ્પ્યુટર્સ. પ્રત્યેકની પાસે વિરોધીઓની પોતાની યજમાન હતી. કેટલાક નિષ્ણાતો પણ આગ્રહ રાખ્યો કે તેઓ પકડશે નહીં. અલબત્ત, અમે બરાબર આગાહી કરી શકતા નથી ભવિષ્ય જેવો દેખાશે અથવા નવા સંશોધનો તેને કેવી રીતે બનાવશે. પરંતુ ફરીથી સમય અને સમય, અમે આગાહી કરવામાં નિષ્ફળ પણ ગયા કે વર્તમાન તકનીકો ભવિષ્યમાં બદલાશે. અને તાજેતરના સંશોધન જાહેર કર્યું છે આપણા વ્યક્તિગત જીવનમાં એક સમાન પેટર્ન: અમે પરિવર્તનની આગાહી કરવામાં અસમર્થ છીએ આપણામાં ત્રણ મનોવૈજ્ઞાનિકો દસ્તાવેજીકૃત વ્યક્તિગત પરિવર્તનની આગાહી કરવામાં અક્ષમતા એક પેપરમાં કહેવાય છે, "ઇતિહાસનો ભ્રમણા સમાપ્ત. " રાજકીય વૈજ્ઞાનિક પછી નામ આપવામાં આવ્યું ફ્રાન્સિસ ફુકુમામાની આગાહી તે ઉદાર લોકશાહી સરકારનો અંતિમ સ્વરૂપ હતો, અથવા જેમ તેને તે કહે છે, "ઇતિહાસનો અંત," તેમનું કાર્ય માર્ગ પર પ્રકાશ પાડે છે આપણે પોતાને સમાપ્ત ઉત્પાદનો તરીકે જુએ છે કોઈ પણ ક્ષણે. તેઓએ આ સહભાગીઓના અડધા લોકોને પૂછ્યું તેમના વર્તમાન વ્યક્તિત્વ લક્ષણોની